તમે આભાને બગાડવા નથી માંગતા, ખરું ને? રસોડા માટે ગુલાબી અને લાલ મોડ્યુલર કિચન માટે બ્લેક અને ઓરેન્જ કલર કોમ્બિનેશન કાળા અને નારંગીના મિશ્રણ સાથે તમારા મોડ્યુલર રસોડામાં એક તરંગી દેખાવ ઉમેરો. નારંગી રંગ તમારી જગ્યામાં અગ્નિ ઊર્જાને પૂરક બનાવશે, અને કાળો શેડ તરીકે શક્તિ અને શક્તિને વ્યાખ્યાયિત કરે છે. જો તમારા સ્વાદ માટે બે શેડ્સ ખૂબ મોટા હોય, તો નીચેની છબીની જેમ અન્યથા સફેદ રસોડામાં સૌંદર્ય શાસ્ત્ર માટે તેમને ઉમેરો. જ્યારે કાળા રંગનો ઉપયોગ ઉચ્ચારણ દિવાલ પર કરી શકાય છે, ત્યારે તમે ફર્નિશિંગમાં નારંગીના શેડ્સનો સમાવેશ કરી શકો છો. વધુ જોવા માટે, છતને તેજસ્વી નારંગી રંગથી રંગવાનું વિચારો. આધુનિક દેખાવ માટે નારંગી સાથે કાળો લીલા સાથે કુદરતી લાકડું આપણામાંના કેટલાકને પ્રકૃતિની નજીક રહેવું ગમે છે. જો તમે તે પ્રકૃતિ પ્રેમીઓમાંના એક છો, તો લીલા રંગના સંપૂર્ણ સંયોજન સાથે લાકડાના ટોનવાળા મોડ્યુલર રસોડું રાખવાનું શું છે? કેબિનેટ્સને લાકડાના કામથી તૈયાર કરવા દો, અને તમારા વાસણોના બ્લોક્સને લીલા રંગના કુદરતી શેડથી રંગી દો. તમારા મોડ્યુલર કિચનને કુદરતી અને તાજું દેખાવ આપે છે. લીલા રંગ સાથે લાકડાના દેખાવ જૂની શાળાનું મોડ્યુલર રસોડું સારા જૂના સમયની ફરી મુલાકાત કોનેકરવી હોય? સારા સમાચારછે કે તમે રેટ્રો-શૈલીના રસોડા દ્વારા તે ક્ષણોને ફરીથી જીવી શકો છો. તમારા રસોડાની દિવાલો માટે સફેદ રંગના રંગ સાથે જાંબલી રંગની કેબિનેટ રાખો. સફેદ અને જાંબલી સાથે જૂના દેખાવ તમારા રસોડામાં બધી તેજ કેટલાક લોકોને તેજસ્વી અને પ્રકાશિત વાતાવરણ ગમે છે. તેઓ રસોડામાં પ્રવેશવા અને આખો દિવસ સકારાત્મક અનુભવ કરવા માંગે છે. પીળા અને સફેદ જેવા તેજસ્વી મોડ્યુલર કિચન રંગોનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકાય છે. પીળા રંગનું રસોડું ક્યારેય રસહીન હોઈ શકે? રોશનીને નીચી રાખવા માટે તમે અહીં-ત્યાં રાખોડી રંગના શેડ્સ રાખીને શેડ્સને હળવા કરી શકો છો. તમારા રસોડામાં તેજ મોડ્યુલર કિચન માટે વાદળી અને નારંગી રંગનું સંયોજન મોડ્યુલર કિચન કલર્સ વાદળી અને નારંગીના સંયોજનના વિકલ્પ સાથે પણ આવે છે. રસોડાને શાંત દેખાવ આપવા માટે કેબિનેટની પાછળ વાદળી છાંટો. વાઇબ્રન્ટ નારંગી-રંગીન કેબિનેટ્સ પ્રેરક મૂડની ખાતરી કરે છે. તમારા રસોડા માટે નારંગી સાથે વાદળી મોડ્યુલર કિચન કલર કોમ્બિનેશનટ્રેન્ડમાં પેસ્ટલ રંગો ઓલ-મોર્ડન અને ટ્રેન્ડી મોડ્યુલર કિચન રાખવા માંગો છો? હળવા ટીલ અને બ્લશ પિંક જેવા પેસ્ટલ રંગો પસંદ કરો. રંગો ગ્રાઉન્ડનેસના સ્પર્શ સાથે અભિજાત્યપણુને જોડે છે. છેવટે, રસોડું કલાત્મક અને મનોરંજક છે. શા માટે તે વિશે રમતિયાળ નથી લાગતું? ટ્રેન્ડી દેખાવ માટે પેસ્ટલ રંગો મોડ્યુલર કિચન માટે સફેદ, લીલો અને બેજ કલર કોમ્બિનેશન લીલોપ્રકૃતિનો રંગ છે જે રસોડાની જગ્યાઓ